ઘરની બહારનો રંગ પસંદ કરવો ધ્યાનમાં લેવાના પરિબળો જ્યારે કલર કોમ્બિનેશનની કોઈ અછત નથી, ત્યાં અમુક બાબતો છે જે તમારે તમારા ઘરની બહારનું નવીનીકરણ કરતા પહેલા ધ્યાનમાં રાખવાની જરૂર છે. પરિબળોમાં શામેલ છે પેઇન્ટ સેમ્પલનો ઉપયોગ કરવો પ્રિન્ટેડ પેઇન્ટ સેમ્પલને બદલે. ઘરની બહારનો રંગ કેવો દેખાશે તેનો ખ્યાલ મેળવવા માટે વાસ્તવિક પેઇન્ટ સેમ્પલનો ઉપયોગ કરો. પ્રિન્ટ અને કુદરતી પેઇન્ટના નમૂનાઓ વચ્ચે નોંધપાત્ર તફાવત હોઈ શકે છે, તેથી વાસ્તવિક નમૂનાઓ તપાસવા જરૂરી છે. તમારા પડોશીના ઘરના રંગો તપાસો જો તમે સંભવિત ખરીદદારો અને પડોશીઓ તરફથી કેટલાક પોઈન્ટ મેળવવા માંગતા હો, તો એવો રંગ પસંદ કરો કે જે પડોશની કર્બ અપીલને પૂરક બનાવે. જો વિસ્તારમાં મકાનમાલિક એસોસિએશન હોય, તો તેમની માર્ગદર્શિકા તપાસવાનું વિચારો અને તમારા ઘરનો રંગ બહાર પસંદ કરો. તમારા પડોશને પૂરક હોય તેવા રંગો પસંદ કરવાનું યાદ રાખો અને તે રંગ પસંદ કરો. વ્ય વ્યવસાયિક મદદ મેળવો ઘણા બધા વિકલ્પો સાથે, ચોક્કસ રંગ સંયોજન પસંદ કરવું જબરજસ્ત બની શકે છે. ફક્ત તેના માટે કંઈક પસંદ કરવાને બદલે કોઈ વ્યાવસાયિકની સલાહ લો. તમારી મૂંઝવણ અને ચિંતાઓ નિષ્ણાત સાથે શેર કરો. તેઓ અપેક્ષાઓ કરતાં તમારા ઘરના રંગને સમજશે અને તેની સાથે સુસંગત કંઈક સૂચવશે. વ્યવસાયિક સલાહ લેતી વખતે, પ્રશ્નો પૂછવામાં અચકાશો નહીં. તે તમારું ઘર બહારનું છે અને તમને તેને સારું દેખાવાનો પૂરો અધિકાર છે. તેથી, ઘરનો બાહ્ય રંગ પસંદ કરતી વખતે પ્રશ્નો પૂછો અને જાણકાર નિર્ણય લો. ઉપરુક્ત તમારા ઘરના બાહ્ય દેખાવને તમને ગમે તે રીતે બદલવા માટે શ્રેષ્ઠ ઘરના રંગની બહારના વિકલ્પોની ક્યુરેટેડ સૂચિ હતી. ઘર માટે શ્રેષ્ઠ બાહ્ય રંગ સંયોજન બનાવવા માટે તમે ઘરની બહારના રંગોને મિક્સ અને મેચ પણ કરી શકો છો. અમે આશા રાખીએ છીએ કે તમને શ્રેષ્ઠ ઘરના બાહ્ય રંગના વિચારો વાંચવામાં આનંદ આવ્યો હશે અને તમારે ઘરની બહારનો રંગ શોર્ટલિસ્ટ કર્યો હશે. જો નહિં, તો તમારા ઘરના બાહ્ય ભાગને સંપૂર્ણ ભવ્યતામાં ફરીથી વ્યાખ્યાયિત કરવાનો અને પ્રયોગ કરવાનો સમય છે. તમારા આંતરિક ભાગમાં કેટલાક જાઝ ઉમેરવા વિશે શું? અહીં ડેકોર એક્સપર્ટની સલાહ લો. હોમ કલર્સ પર વધુ શ્રેષ્ઠ ઘર રંગ ડિઝાઇન કર આંતરિક રંગ સંયોજન રંગ સંયોજન વિચારો, બાહ્ય ઘરના રંગ વિચારો, બેડરૂમ માટે કલર કોમ્બિનેશન ઘરના આંતરિક રંગના વિચારો, શ્રેષ્ઠ ઘર રંગ સંયોજનો ઘર બહાર રંગ વિચારો, બે રંગ સંયોજન વિચારો.